ભ્રષ્ટાચારનો કિલ્લો બચાવવા માટે મહાગઠબંધન સરકાર લોકતંત્ર પર હુમલો કરી રહી છે. જે વ્યક્તિ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેને બચાવવા માટે બિહારના મુખ્યમંત્રી પોતાની નૈતિકતા ભૂલી ગયા છે. ચિરાગ પાસવાને પણ વ્યક્ત કર્યું દુઃખ વિજય કુમાર સિંહના મોત પર દુઃખ વ્યક્ત કરતા ચિરાગ પાસવાને કહ્યું કે હું નીતિશ કુમાર અને બિહાર સરકારને પણ પૂછવા માંગુ છું કે તેમના મોત માટે કોણ જવાબદાર છે? કોઈને લાકડીથી પીટાઇ કરીને મારી નાખ્યો. જે લોકો રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવે છે તેમને લાકડીઓથી ચુપ કરી દેવામાં આવે છે. સીએમએ જવાબ આપવો જોઈએ, આ મોત માટે તે જવાબદાર છે. ટ્રેન્ડિંગ ન્યૂઝબિહારભાજપ:। અજિત પવારને મળી શકે છે વિત્ત મંત્રાલય! અમિત શાહ સાથે મુલાકાત પછી મંત્રીમંડળ વિસ્તાર પર ચર્ચા તેજ અજિત પવારને મળી શકે છે વિત્ત મંત્રાલય! એનસીપી નેતા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ સાથે બેઠક માટે બુધવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન સૂત્રોના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે અજિત પવાર જૂથને વિત્ત મંત્રાલય આપવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના નવનિયુક્ત ડિપ્ટી સીએમ અજિત પવારને નાણાં મંત્રાલય આપવાની વાત લગભગ નિશ્ચિત થઇ ચુકી છે. હવે ફક્ત ઔપચારિક જાહેરાત બાકી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અજિત પવારે મહેસૂલ, સિંચાઈ, ગ્રામીણ વિકાસ, પર્યટન, સામાજિક ન્યાય, મહિલા અને વિકાસ અને આબકારી જેવા વિભાગોમાં પણ રસ દાખવ્યો છે. કોઈ કેન્દ્રીય મંત્રાલયની માંગ નથી: પ્રફુલ પટેલ એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધનમાં તિરાડ પડી હોવાના અહેવાલોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે વિભાગોની ફાળવણીનો મુદ્દો હલ થઈ ગયો છે અને એક કે બે દિવસમાં રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. એનસીપી કેન્દ્ર સરકારમાં જોડાશે કે કેમ તેવા સવાલના જવાબમાં પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે અમે કોઈ કેન્દ્રીય મંત્રાલયની માગણી મુકી નથી.: બે રાજ્યો વચ્ચેની હિંસા ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો કેવી રીતે બની? થી લઈને એ મેદાનમાં કૂદવું પડ્યું: કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? અજિત દાદા અને મેં ભાજપના ટોચના નેતૃત્વ સાથે કોઈ ઔપચારિક બેઠક કરી નથી. પટેલ અને અજિત પવાર ઉપરાંત એનસીપીના વરિષ્ઠ નેતા હસન મુશરીફ પણ દિલ્હી પહોંચ્યા છે. જોકે પટેલે જણાવ્યું હતું કે હસન મુશરીફ અહીં કોઈ અંગત કામ માટે આવ્યા છે અને તેઓ ભાજપના નેતાઓ સાથેની બેઠકમાં અજિત પવાર અને તેમની સાથે જોડાશે નહીં.